શા માટે તે અસ્પષ્ટ હશે? કારણ કે, તમે નીચે જોયું અને તે લેન્સનો નજીક માટેનો ભાગ છે પરંતુ આગળનું પગલું તમારી આંખ માટે હાથ જેટલું લાબું છે. આગળનો ઉપાય જે હું બતાવવા માંગું છું તે થોડું ઓછું સામાન્ય છે પરંતુ કોન્ટેક્ટ લેન્સ અથવા લેક્સી લેજીક સર્જરીમાં આવે, અને એમને મોનોવિઝિન કહેવાય છે. તે પ્રબળ આંખ ને દૂર નું ધ્યાન કેન્દ્રિત કરાવે છે અને બીજી ને નજીક નું તે કરાવે છે. તમારું મગજ બુદ્ધિપૂર્વક દરેક આંખના દૃષ્ટિકોણથી તીક્ષ્ણ ભાગો ને એક સાથે મૂકવાનું કામ કરે છે, પરંતુ બંને આંખો થોડી જુદી જુદી વસ્તુઓ જુએ છે, અને તે દૂરબીનથી અંતર નજીક કરવા મુશ્કેલ બનાવે છે. તો આ આપણે ક્યાં છોડી દે છે? અમે ઘણા ઉકેલો સાથે આવ્યા પરંતુ તેમાંના કોઈપણ કુદરતી શક્તિ પુનસ્થાપિત કરતા નથી. તેમાંથી કોઈ પણ તમને કોઈ વસ્તુ એમજ જોઈ ને ધ્યાન કેન્દ્રિત નથી કરવા દેતું. પણ કેમ? તેને સારી રીતે સમજવા માટે આપણે માનવ આંખની શરીરરચના પર એક નજર નાખીશું. આંખનો તે ભાગ જે અમને વિવિધ અંતર પર ત્યારે ધ્યાન કેન્દ્રિત કરવા દે તેને સ્ફટિકીય લેન્સ કહેવાય છે. ત્યાં લેન્સની આસપાસના સ્નાયુઓ હોય છે જે તેને વિવિધ આકારમાં વિકૃત કરે છે કસે, જે બદલામાં તેની કેન્દ્રિત શક્તિને બને છે. શું થાય જ્યારે કોઈ પ્રેસુવગ બને છે? એમ બને છે કે સ્ફટિક લેન્સ સખત થઇ જાય છે એટલે કે તે હવે આકારમાં ફેરફાર તરતું નથી. હવે, આગળ સૂચવેલા ઉકેલો પર ફરી વિચારયે આપણે જોઈ શકીએ છે કે તેમાં કંઈક સમાનતા છે પણ આપણી આંખો સાથે નહિ, અને તે એ છે કે તે બધા સ્થિર છે. તે ઓપ્ટિકસ કમ કીયો ના લાકડા ના પગ જેવું છે. તો ઓપ્ટિકલ માટે આધુનિક કૃત્રિમ પગ શું હશે? છેલ્લા કેટલાક દાયકાઓમાં સર્જિત અને ઝડપી વિકાસ જોવા મળ્યો છે જેને "ફોકસ-ટ્યુનેબલ લેન્સ" કહેવાય છે. તેના ઘણાં વિવિધ પ્રકારો છે. યાંત્રિકી સ્થળાંતરિત અલ્વવેરેઝ લેન્સ, ડિફોર્મેબલ લિક્વિડ લેન્સ અને ઇલેક્ટ્રોનિકલી સ્વીચ, લિક્વિડ ક્રિસ્ટલ લેન્સ. હવે આના પોતાના વિકલ્પ-વિનિમય છે, પણ તે દ્રશ્ય। અનુભવ અવગણુ નહિ કરતુ. પૂર્ણ-ક્ષેત્ર-દૃષ્ટિની દૃષ્ટિ જે કોઈપણ અંતરે તીક્ષ્ણ હોઈ શકે છે. ઠીક છે. આપણે જરૂરના લેન્સ અસ્તિત્વમાં છે. પ્રશ્ન ઉકેલાઈ ગયો, બરાબર? આટલું જલ્દી નહિ. ફોકસ-ટ્યુનેબલ લેન્સ સમીકરણમાં થોડી જટિલતા ઉમરે છે. લેન્સ પાસે તે જાણવાની કોઈ રીત નથી કે તેઓ કયા અંતર પર ધ્યાન કેન્દ્રિત કરે. આપણે એવા લેન્સ ચશ્માં જોઈએ છે જે જયારે તમે દૂર જોવું, ત્યારે દૂર ની વસ્તુ તીક્ષ્ણ હોય અને નજીક જોવો, ત્યારે નજીક ની વસ્તુ દૃષ્ટિકોણના